જો આપ કે આપના કોઈ પરિચિત તલાટીની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તોઅહેવાલ જરૂરથી વાંચશો. ખાસ કરીને મહીસાગર જિલ્લામાં જેમને પરીક્ષા આપવાની છે તેમને જાણી લેવું જરૂરી છે. કેટલીક સેવાકીય સંસ્થાઓ સામે આવી છે જે પરીક્ષાર્થીઓના જમવા અને રહેવાની વ્યવસ્થા કરી દેવાની છે પરંતુ તે ઉમેદવારે પહેલા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે પણ અમે આપને અહીં દર્શાવીશું. રજીસ્ટ્રેશન કરવા માટે જાહેર કરાયા નંબર સમગ્ર ગુજરાતમાં આગામી તારીખ મે ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રીની ભરતી માટે પરીક્ષા યોજાનાર છે, ત્યારે તંત્ર દ્વારા પણ સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરીક્ષામાં આયોજનના ભાગરૂપે પરીક્ષાર્થીઓની અલગ અલગ જિલ્લામાં પરીક્ષા આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. અન્ય જિલ્લામાંથી આવતા પરીક્ષાર્થીને રહેવા જમવાની અગવડપડે તે માટે સેવાભાવિ સંસ્થાઓ પણ સામે આવી રહી છે. મહીસાગર જિલ્લામાં પરીક્ષા આપવા માટે આવનાર પરીક્ષાર્થીઓ માટે લુણાવાડા ટાઉન પોલીસ તેમજ મહીસાગર જિલ્લા મહાકાલ સેના દ્વારા લુણાવાડા શહેરમાં કોટેજ ચાર રસ્તા ખાતે આવેલા રાજપૂત સમાજ ઘર ખાતે થી વધુ પરીક્ષાર્થીઓને રહેવાને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગુજરાતના કોઈપણ જિલ્લામાંથી પરીક્ષા આપવા માટે આવતા પરીક્ષાર્થીને અહીંયા રોકાવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશન કરાવવા માટે મોબાઈલ નંબર પણ મહાકાલ સેના તેમજ ટાઉન પોલીસ લુણાવાડા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર સુધી જવાની પણ વ્યવસ્થા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ ટાઉન પોલીસ સ્ટેશનના કે જ્યાં ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ધેનુ ઠાકર અને મહાકાલ સેના દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તારીખ મે ના રોજ યોજાના તલાટી ક્રમમંત્રીની ભરતી પરીક્ષા માટે જે પરીક્ષાર્થીઓ મહીસાગર જિલ્લામાં પરીક્ષા આપવા માટે આવનાર છે. તેમના રહેવા તેમજ જમવા તેમજ જે તેમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે આયોજન કરવા માટેની બેઠક યોજાઇ હતી.